માત્ર રૂમના ટોનને દૃષ્ટિની રીતે સંતુલિત કરતું નથી પણ જગ્યાના એકંદર સૌંદર્ય શાસ્ત્રમાં પણ સુધારો કરે છે. ગ્રેકોયડો અને રહસ્યના સંકેત સાથેનો એક સરસ અને ભવ્ય રંગ છે. બ્લેક એન્ડ વ્હાઇટ બેડરૂમ કલર કોમ્બિનેશન. કાળો અને સફેદ બેડરૂમ યોગ્ય સરંજામ સાથે રચનાત્મક રીતે રચાયેલ છે ભવ્ય અને સ્ટાઇલિશ એવા શબ્દો છે જે બેડરૂમની દિવાલો માટે કાળા અને સફેદ બે રંગના સંયોજનને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે. સફેદ અને કાળો મજબૂત વિરોધાભાસ છે અને સુંદર રીતે કામ કરે છે, કાળો શબ્દ શક્તિ, સત્તા અને શક્તિ માટે વપરાય છે .સફેદ, બીજી બાજુ, નિર્દોષતા, પ્રકાશ, સરળતા અને શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તમારા બેડરૂમમાં બે રંગો રાખવાથી એક રહસ્યમય અને અત્યાધુનિક વાતાવરણ સર્જાય છે. લાકડાના ફ્લોરિંગ સાથે તમારા રૂમમાં થોડી માટી ઉમેરો અથવા ટાઇલ્સ પસંદ કરો અને તટસ્થ-ટોન ગાદલું મૂકો. બેડરૂમ માટે ચોકલેટ બ્રાઉન અને બેજ કલર કોમ્બિનેશન .પૃથ્વીના ટોન દ્વારા નિર્ધારિત બેડરૂમઘેરા બદામી અને રંગેલું ઊની કાપડ દિવાલો અને લાકડાના ફ્લોરિંગ બદામી રંગના બે વિરોધાભાસી શેડ્સ .ચોકલેટ અને રંગેલું ઊની કાપડ બેડરૂમની દિવાલો માટે એક મહાન બે રંગ સંયોજન છે. બ્રાઉન સ્થિતિસ્થાપકતા અને સુરક્ષાનો રંગ છે, અને તે હૂંફ અને આરામની છાયા પણ છે. તેની સાથે સંપૂર્ણપણે સારી રીતે મિશ્રણ કરવુંન રંગેલું ઊની કાપડ શેડની સરળતા અને શાંત છે. તેઓ સાથે મળીને સંતોષ અને સુખાકારીનું વાતાવરણ બનાવવામાં મદદ કરે છે, તમારા બેડરૂમને તમારી સલામતી જગ્યા બનાવે છે. મસ્ટર્ડ અને ગ્રીન બેડરૂમ કલર કોમ્બિનેશન. નરમ પીળી લાઇટો અને સુંદર દિવાલોના રંગો સાથેનો એક સરળ અને ભવ્ય બેડરૂમ. જ્યારે લીલો રંગ પ્રકૃતિનું સૌથી સ્પષ્ટ પ્રતિનિધિત્વ છે, તે વિપુલતા, વૃદ્ધિ અને સારા નસીબનું પણ પ્રતીક છે. સરસવ, છાયામાં વિરોધાભાસી હોવા છતાં, તેના પાત્ર સાથે પણ સ્તુત્ય છે. સરસવનો રંગ હૂંફ અને વિવિધતા દર્શાવે છે તે સર્જનાત્મકતાની ઉજવણી કરે છે અને તમને વધુ સારું કરવા પ્રેરણા આપે છે. રંગ મનોવિજ્ઞાન મુજબ, બેડરૂમની દિવાલો માટે લીલા અને સરસવના રંગનું મિશ્રણ આંખોને આનંદદાયક છે અને તે લોકો માટે પણ સારું છે જેઓ થોડી પ્રેરણા શોધી રહ્યા છે. જો તમે બે અનોખા શેડ્સ થોડા વધુ હોવા અંગે ચિંતિત હોવ, તો નરમ, પીળી લાઇટનો ઉપયોગ કરો અને તમારી પાસે તમને ગમતો બેડરૂમ છે! મરૂન અને સફેદ બેડરૂમ સરસ ગાલીચા સાથે વિશાળ બેડરૂમમાં મરૂન ઉચ્ચારણ દિવાલ .મરૂન અને સફેદ રંગના મિશ્રણ સાથે અદભૂત જગ્યા બનાવો. જ્યારે મરૂન તમારી જગ્યાને આરામદાયક બનાવે છે, ત્યારે સફેદ તેને વિશાળ બનાવે છે અને એક એવું મિશ્રણ બનાવે છે જે બોલ્ડ અને અદભૂત બંને છે.